ટિકિટ કપાતા ભાજપના ઘણા નેતાઓ નારાજ થયા છે અને તેમાંથી ઘણા નેતાઓએ ખુલ્લેઆમ પોતાનો વિરોધ દર્શાવીને અપક્ષ ઉમેદવાર તરીક ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ચૂંટણીમાં નારાજ ઉમેદવારોને મનાવવાની અને ડેમેજ કન્ટ્રોલને રોકવાની જવાબદારી ભાજપના મોટા નેતાઓને સોંપવામાં આવી હતી જો કે તેઓ સ્પષ્ટપણે નિષ્ફળ રહ્યા હોવાનું દેખાય છે. આવા બળવાખોર નેતાઓને મનાવવામાં સીઆર પાટીલ પણ નિષ્ફળ રહ્યા છે. સીઆર પાટીલે આવા બળવાખોર નેતાઓ જો અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે તો તેમને ભાજપમાંથી સસ્પેન્ડ કરાશે તેવી ચીમકી આપી હતી. આ ધમકીથી ડર્યા વગર અને દબાણમાં આવ્યા વગર આ ચૂંટણીમાં ભાજપના આ સાત નેતાઓએ પોતાના જ પક્ષ સામે મોરચો માંડ્યો છે. હવે તેઓ જીતશે કે હારશે તે આગામી સમયમાં જોવાનું રહ્યું. લોકસભા ચૂંટણી એનડીએને પુનઃજીવિત કરવાનો પ્લાન ભાજપ અઢાર જુલાઈએ જૂના અને નવા સાથી પક્ષો સાથે બેઠક કરશે લોકસભા ચૂંટણી એનડીએને પુનઃજીવિત કરવાનો પ્લાન ભાજપ અઢાર જુલાઈએ જૂના અને નવા સાથી પક્ષો સાથે બેઠક કરશે. ભાજપ લોકસભા ચૂંટણી માટેના વધુ એક પગલા માટે એનડીએના જુના અને નવા સાથી પક્ષો સાથે બેઠક કરશે. ભાજપ આગામી લોકસભા ચૂંટણી માટે તમામ પ્રકારની તૈયારીઓ અને રણનીતિ સાથે કામ કરી રહી છે. આ બાજુ જ્યારે વિપક્ષી પાર્ટીઓ સત્તર-અઢાર જુલાઈ દરમિયાન બેંગલુરુમાં તેમની બીજી બેઠક યોજવાની તૈયારીમાં છે, ત્યારે સત્તારૂઢ ભાજપે અઢાર જુલાઈએ દિલ્હીમાં યોજાનારી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ ની બેઠક માટે તેના જૂના અને નવા સાથી પક્ષોને પણ આમંત્રણ આપ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે, અત્યાર સુધી ઓગણીસ પક્ષોએ એનડીએની બેઠકમાં તેમની ભાગીદારીની પુષ્ટિ કરી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સાથી પક્ષોને એક પત્ર મોકલ્યો છે જેમાં અજિત પવારની આગેવાની હેઠળના જૂથ અને જીતન રામ માંઝીના હિન્દુસ્તાની અવમ મોરચા જેવા નવા સાથી પક્ષોને અઢાર જુલાઈના સંમેલન માટે આમંત્રિત કર્યા છે. થી લઈને એ મેદાનમાં કૂદવું પડ્યું કાકા-ભત્રીજાની લડાઈ ઉકેલાશે? એનડીએની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે, જેને ભાજપ દ્વારા શાસક ગઠબંધન માટે તાકાત બતાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન આ પહેલો પ્રસંગ છે, જ્યારે એનડીએની આ સ્તરની બેઠક થઈ રહી છે. એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના ઉપરાંત, એનડીએના સાથી પક્ષોમાં બિહારના કેટલાક નાના પક્ષો તેમજ પૂર્વોત્તર ક્ષેત્રના કેટલાક શાસક સાથી પક્ષોનો સમાવેશ થાય છે.